આશા છે કે તમને કીબોર્ડ વિશે આજે કઈક નવું જાણવા મળ્યું હશે. તમારા મિત્રો સાથે પણ આ માહિતી જરૂર શેર કરજો. અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો. ફંક્શન કી શું છે? વન થી ટ્વેલ્વ બટનના ઉપયોગ શું છે? ગ્રાફિક કાર્ડ એટલે શું? વિશે જાણકારી મધરબોર્ડ એટલે શું? જાણો કમ્પ્યુટરના આધાર મધરબોર્ડ વિશે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? વિશે જાણકારી આઉટપુટ ડિવાઇસ એટલે શું? વિન્ડોઝ ઇલેવન શું છે? ઇલેવન વિશે પૂરી જાણકારી જ્યારે વિન્ડોઝ ટેન આવ્યું હતું ત્યારે માઇક્રોસોફ્ટના અમુક કર્મચારી દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે માઇક્રોસોફ્ટનું ટેન તેમનું છેલ્લું છે અને તેમાં બસ હવે રેગ્યુલર અપડેટ આવતા રહેશે પણ ટૂ થાઉસન્ડ ટ્વેન્ટી વનમાં માઇક્રોસોફ્ટએ પોતાનું નવું વિન્ડોઝ ઇલેવન નું એલાન કરીને વિન્ડોઝ પ્રેમીઓને વધારે ઉત્સાહિત કરી દીધા છે. હા મિત્રો ટ્વેન્ટી ફોર-સિક્સ-ટૂ થાઉસન્ડ ટ્વેન્ટી વનએ માઇક્રોસોફ્ટએ નવા ઇવેંટમાં વિન્ડોઝ ઇલેવન વિશે જાણકારી આપી છે. ટૂ થાઉસન્ડ ટ્વેન્ટી વનના જૂન મહિનામાં જ વિન્ડોઝ ઇલેવનની ફાઇલ લીક થઈ ગઈ હતી અને હવે માઇક્રોસોફ્ટએ જાતે જ ખાતરી કરી છે કે હા વિન્ડોઝ ઇલેવન તેમનું એક નવું ઓપરેટિંગ સિસ્ટમ છે. જ્યારે માઇક્રોસોફ્ટના સપોર્ટ પેજ પર વિન્ડોઝ ટેન માટે સુધી સપોર્ટ આપવાનું જણાવ્યુ હતું, ત્યારથી જ બધાને ખબર પડી ગઈ હતી કે માઇક્રોસોફ્ટ પોતાનું નવું જલ્દી લાવી રહી છે. તો ચાલો આપણે આજે વિન્ડોઝ ઇલેવન શું છે? અને ઇલેવન વિશે ઘણી બધી જાણકારી જાણીશું જે તમને કદાચ નહીં ખબર હોય. વિન્ડોઝ ઇલેવન શું છે? માઇક્રોસોફ્ટના ઘણા બધા લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે જેને કમ્પ્યુટર વાપરનાર વ્યક્તિનું જીવન જ ખૂબ સહેલું કરી દીધું છે. અત્યારે લાખોના ધંધાઓ વ્યાપારીઓ પોતાના વિન્ડોઝ કમ્પ્યુટર કે લેપટોપમાં મેનેજ કરતાં હોય છે કારણ કે વિન્ડોઝ ચલાવવામાં ખૂબ સહેલું છે. માઇક્રોસોફ્ટએ લોકોની કમ્પ્યુટર વાપરવાની રીતને વધુ સહેલી બનાવવા માટે ટ્વેન્ટી ફોર-સિક્સ-ટૂ થાઉસન્ડ ટ્વેન્ટી વનના રોજ પોતાના નવા ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઇલેવનનું એલાન કર્યું છે અને આ વિન્ડોઝ ઇલેવન ખૂબ ઝડપી અને યુઝરને કોઈ પ્રોબ્લેમ ન થાય તેના લીધે વધુ સિમ્પલ બનાવવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટએ પહેલા ઘણા બધા ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કર્યા હતા જેમાં મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ, વિન્ડોઝ સેવન, વિન્ડોઝ એઈટ, વિન્ડોઝ ટેન અને અત્યારે વિન્ડોઝ ઇલેવન છે, માઇક્રોસોફ્ટએ પોતાનું પહેલું વર્ઝન વર્ષ નાઈનટિન એઈટી ફાઈવમાં લોન્ચ કર્યું હતું અને ત્યારબાદ પણ ઘણા બધા લોન્ચ કર્યા હતા જેના નામ નવી પેઢીના લોકોને ખબર પણ નહીં હોય. વિન્ડોઝ ઇલેવન એક નવું સિમ્પલ અને ઝડપી છે જે વિન્ડોઝ ટેન પછીનું છે. માઇક્રોસોફ્ટએ આ માં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે જેમાથી આપણે મુખ્ય ફીચર્સ વિશે આગળ વાત કરીશું.